ભૂમિ પૂજન મુહૂર્ત તારીખો શુભ મહિનાઓ, તિથિઓ અને નક્ષત્રો ગૃહપ્રવેશની જેમ, ભૂમિપૂજનપણ એક આવશ્યક વિધિ છે જે નવા ઘરનું બાંધકામ શરૂ કરતા પહેલા એક શુભ ભૂમિપૂજન મુહૂર્ત તારીખે થવી જોઈએ. તે પવિત્રતા જાળવા અને મહત્તમ લાભ મેળવવા માટે કરવામાં આવે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ, દરેક મહત્વપૂર્ણ કાર્યનો એક શુભ સમય હોય છે, અને કાર્ય દરમિયાન અથવા પછી કોઈપણ અવરોધ ટાળવા માટે વ્યક્તિએ તેનું પાલન કરવું જોઈએ. તેથી, જો તમે શુભ ભૂમિ પૂજન મુહૂર્ત તારીખ શોધી રહ્યા હોવ, તો નીચે બધી સંબંધિત વિગતો શોધો ભૂમિપૂજન અથવા ગૃહ નિર્માણ માટે શ્રેષ્ઠ હિન્દુ મહિનાઓ હિંદુ કેલેન્ડર મુજબ, ભૂમિપૂજન માટેના શ્રેષ્ઠ મહિનાઓ નીચે મુજબ છે પૌષા વૈશાખ અગ્રહાયણ ફાલ્ગુના કેટલાક નિષ્ણાતો અને જ્યોતિષીઓ ગૃહ નિર્માણ પૂજા અથવા ભૂમિપૂજન માટે શ્રાવણ, કાર્તિક, માઘ અને ભાદ્રપદના મહિનાઓ પણ સૂચવે છે. ભૂમિ પૂજન માટે શ્રેષ્ઠ નક્ષત્રો તે માત્ર યોગ્ય મહિનોમહત્વપૂર્ણ નથી, પરંતુ તમારે ભૂમિપૂજન કરવા માટેના શુભ સમય અને દિવસો પણ તપાસવા જોઈએ. કેટલીક શુભ તિથિઓ, સમય, દિવસો અને નક્ષત્રો છે જેનો તમારે અગાઉથી વિચાર કરવો જોઈએ. માર્ગશીર્ષ અનુરાધા ઉત્તરા ફાલ્ગુની ધનિષ્ઠા પુષ્ય ઉત્તરા ભાદ્રપદ હસ્તા ઉત્તરા આષાઢ રેવતી શતભિષા સ્વાતિ ચિત્રા રોહિણી ઘર માટે પાયો સ્થાપિત કરવા અને સરળ બાંધકામ કાર્ય કરવા માટે, ઉપર જણાવેલ તમામ નક્ષત્રો શુભ નક્ષત્રો માનવામાં આવે છે. શુભ તિથિ અથવા માં ગૃહ નિર્માણ પૂજા માટેની શુભ તારીખ માં ભૂમિપૂજન માટે શુભ મુહૂર્ત અથવા શુભ તિથિઓ નીચે મુજબ છેદ્વિતિયા તૃતીયા પંચમી સપ્તમી દશમી એકાદશી ત્રયોદશી પૂર્ણિમા ભૂમિ પૂજન મુહૂર્ત માં ગર્ભ નિર્માણ માટે શુભ લગ્ન જો તમે માં ઘર ઘરનું બાંધકામ સ્થાપિત કરવાની યોજના ઘડી રહ્યા હો, તો તમારે અષાઢ શુક્લથી કાર્તિક શુક્લ સુધી બાંધકામનું કામ શરૂકરવું જોઈએ. હિંદુ માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુ અષાઢ શુક્લ એકાદશી અને કારતક શુક્લ એકાદશી વચ્ચેના સમયથી શાશ્વત નિદ્રામાં રહે છે. તેથી, જો તમે આમાંથી કોઈપણ મહિનામાં ઘરનું બાંધકામ કરો છો, તો તમારા ઘરને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ શકશે નહીં. આથી, હિન્દુઓ આ મહિનાઓ શુભ પ્રસંગો અને લગ્ન માટે પણ ટાળે છે. જો કે, શ્રેષ્ઠ લગ્નોમાં તમે તમારા ઘરનું બાંધકામ શરૂ કરી શકો છો. દ્વિતીયા, તૃતીયા. પંચમી. ષષ્ઠી, અષ્ટમી, નવમી, એકાદશી, દ્વાદશીમાં મહિના મુજબ ભૂમિપૂજન મુહૂર્ત તારીખો એકવાર તમે જમીન પર બાંધકામ શરૂ કરવાનું નક્કી કરી લો તે પછી, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ લાવવા માટે તમારા નવા મકાનનું બાંધકામ શરૂ કરવા માટેનો શુભ સમય શોધવો મહત્વપૂર્ણ છે. એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં ભૂમિપૂજન મુહૂર્ત હિંદુ કેલેન્ડર મુજબ, માં એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં ભૂમિપૂજન અથવા